દવાઓ પર ક્યૂઆર કોડ ફરજિયાત કરવાનો નિર્ણય દેશમાં નકલી દવાઓના વેચાણને રોકવા માટે કેન્દ્ર સરકારે કેટલીક દવાઓના પેકેટ પર ક્યૂઆર કોડ છાપવાનું ફરજિયાત બનાવ્યું હતું. આ નિયમ હેઠળ દેશની ટોચની ત્રણસો ફાર્મા બ્રાન્ડ્સને તેમની દવાઓના પેકેટ પર ક્યૂઆર કોડ આપવાનો હતો. આ યાદીમાં એલેગ્રા, શેલકેલ, કાલપોલ, ડોલો અને મેફ્ટેલ જેવી લોકપ્રિય દવાઓનો સમાવેશ થતો હતો. ક્યૂઆર કોડથી શું માહિતી મળશે? ગ્રાહક ક્યૂઆર કોડ સ્કેન કરીને દવા વિશેની મહત્વપૂર્ણ માહિતી મેળવી શકે છે, જેમ કે: દવાનું જેનેરિક નામ બ્રાન્ડનું નામ મેન્યુફેક્ચરર એટલે કે ફાર્મા કંપનીનું નામ મેન્યુફેક્ચરિંગ તારીખ એક્સપાયરી તારીખ મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ નંબર યુનિક પ્રોડક્ટ આઇડેન્ટિફિકેશન કોડ આ નિયમ શા માટે લાવવામાં આવ્યો? મુખ્ય હેતુ નકલી અને ગેરકાયદેસર દવાઓની ઓળખ સરળ બનાવવાનો અને ગ્રાહકોને દવાની ઓથેન્ટિસિટી ચકાસવામાં મદદ કરવાનો હતો. આ માટે સરકારે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ઓગણીસો ચાલીસ હેઠળ નિયમોમાં ફેરફાર કર્યો હતો. ક્યૂઆર કોડ છાપવાથી દવાઓ મોંઘી થશે? ક્યૂઆર કોડ છાપવા માટે ફાર્મા કંપનીઓને વધારાનો પ્રિન્ટિંગ અને મેન્યુફેક્ચરિંગ ખર્ચ થઈ શકે છે. જોકે, આ ખર્ચ સીધો ગ્રાહક પર નાખવામાં આવશે એવું જરૂરી નથી. જો કંપનીઓ આ વધારાનો ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલ કરે, તો દવાની કિંમતમાં થોડો વધારો થઈ શકે છે.